આ યુધ્ધ જહાજ રડારમાં પકડાતુ નથી તથા ખૂબ જ શક્તિશાળી છે. આ અરજીમાં અરજદારે બંન્ને આરોપીઓ સામે બે સમુદાયોમાં ભાગલા પાડે તેવા નિવેદનો કરવાનો આરોપ મૂક્યો છે. ઈસ્ટર્ન ઝોનલ કલ્ચરલ સેન્ટર ખાતે ભાજપ મહિલા મોરચાના ઉપક્રમે દુર્ગાપૂજા પંડાલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં આ માર્ગ ઉપર માલગાડીઓ ચલાવાશે. ઘણા કોમર્શિયલ એકમોએ આ નવતર કિટના ઉત્પાદનના પરવાના મેળવવા માટે ખડગપુરનો સંપર્ક કર્યો છે. ભારતે રાષ્ટ્રીય યોજના હેઠળ જૈવિક પદ્ધતિથી મેળવેલા કૃષિ ઉત્પાદનોને ઝડપથી પ્રમાણપત્રો આપવાની નીતિ અપનાવી છે. એક આ બાબત જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા મદદરૂપ થશે. કેન્દ્ર સરકારે એક કરોડ બાવીસ લાખ કિસાન ક્રેડિટ કાર્ડને મંજૂરી આપી છે, અને તે દ્વારા એક લાખ કરોડ રૂપિયાથી વધુની ધિરાણ સુવિધા પૂરી પાડી છે. જહાજ ઉદ્યોગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે આ ભાગીદારીથી દરિયાકાંઠાના વિસ્તારોના યુવાનોને રોજગારીની વિશાળ તકો અને સારી સંભાવના મળશે. વાવરીન્કાએ હવે સ્પર્ધાની સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. કોર્ટે બંનેને જાત મુચરકા પેટે એક લાખ રૂપિયા જમા કરવા અને તેમના પાસપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે. તેનો ઉદ્દેશ્ય વધતા દરિયાઇ ઉદ્યોગ અને દરિયાકાંઠાના સમુદાયોના કૌશલય વિકાસ માટે પ્રયત્નો કરાયા છે. વાવરીન્કા સામે પરાજય થયો છે. ભારત અને ચીન સરહદને લગતી અને વણ ઉકેલાયેલી બાબતોનો ઉકેલ વર્તમાન સમજૂતી અને પ્રોટોકોલ દ્વારા લાવવા સહમત થયા છે.